રેડિયોમાં યોગના શ્રેષ્ઠ કવરેજની શ્રેણી માટે અગિયાર એવોર્ડ એનાયત થયા આકાશવાણીના મુખ્ય કાર્યકારી અધિકારી અવિનાશ જોશી અને સંયુક્ત સીઇઓ એ વર્તમાન વિધાનસભાની મુદ્દત બાવીસ મી ફેબ્રુઆરીએ પૂરી થાય છે દરમિયાન અમેરીકાના સંરક્ષણ સચિવ માર્ક એસ્પરે એ વાતને નકારી દીધી છે કે અમેરીકી સૈન્યના એક પત્ર બાદ અમેરીકી સૈનિક ઇરાકથી બહાર નીકળી રહ્યા છે જમ્મુ કાશ્મીરનો અવંતીપોપરામાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં આજે એક આતંકવાદી માર્યા ગયો છે જેથી તહેરાને વધુ હિંસા અને ઉશ્કેરણી ટાળવી જોઇએ દેશમાં વેપારમાં અરબના વધારવા માટે કેન્દ્ર દ્વારા લેવામાં આવેલા તમામ પગલાઓની માહિતી આપના શ્રી મોદીએ સરકાર તરફથી તમામ મદદની ખાતરી આપી હતી પ્રધાનમંત્રીએ કોર્પોરેટ ક્ષેત્રના વિસ્તાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની અપીલ કરી હતી તેમણે ટેક્સ સિસ્ટમની પારદર્શિતા પર પણ પ્રકાશ પાડ્યો હતો મિશન ઇન્દ્રધનુષ રસીકરણ કાર્યક્રમના બીજા તબક્કાનો પ્રારંભ થયો નાટોએ પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં સંયમ રાખવા અને સંઘર્ષને આગળ વધવા ન દેવા અનુરોધ કર્યો છે ગઇકાલે દિલ્હીમાં કિર્લોસ્કર બ્રધર્સની શતાબ્દિ ઉજવણીમાં સંબોધન કરતા તેમણે ભારતને પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાનાં આર્થિક લક્ષ્ય ઉપર ભાર મૂક્યો હતો ત્યારબાદ તેઓ બંગારામ જવા રવાના થશે તેઓ ગુરુવારે કોચી જશે અને ત્યાંથી દિલ્હી પરત ફરશે બેઠકોની દિલ્હી વિધાનસભાની ચૂંટણી આઠમી ફેબ્રુઆરીએ યોજાશે અને અગિયાર મી ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોજધન કરતા મુખ્ય ચૂંટણી કમિશ્નર શ્રી સુનિલ અરોરાએ જણાવ્યું કે ચૂંટણી ન્યાયી અને નિષ્પક્ષ યોજાય તે માટે ચૂંટણીતંત્ર પ્રતિબધ્ધ છે અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન પર નવા વર્ષની શુભેચ્છા પાઠવતા શ્રી મોદીએ પરસ્પર હિતના બધા જ ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે તેમની સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી માયા ગયેલા આતંકીની ઓળખ શાહીદ તરીકે કરવામાં આવી છે તેમણે કહ્યું હતું કે ત્રણ કેટલાક તૃષ્ટ અને અપ્રામાણિક લોકો સામે પગલાં લેવાને કારણે સરકારને વિરોધી કહેવુ અયોગ્ય છે તેમજ નવા વર્ષમાં ભારતના લોકોને પણ સમૃધ્ધિ અને પ્રગતિની શુભેચ્છા પાઠવી તેમણે એમ પણ જણાવ્યું કે આ નવો સંઘર્ષ કોઇપણના હિતમાં નથી તેમણે કહ્યું હતું કે સમાજમાં સારી બાબતોનો પ્રચાર કરવાની મિડિયાની જવાબદારી છે નાટોએ પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં સંયમ રાખવા અને સંઘર્ષને આગળ વધવા ન દેવા આહ્વાન કર્યું છે દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા માટે તેમની તત્પરતાને પુનરાવર્તિત કરી હતી ત્રીસ દેશમાં રસીકરણનાં કાર્યક્રમોને વેગ આપવા માટે કેભ સરકારે મિશન ઇનું ધનુષ કાર્યક્રમની શરુઆત કરી છે આકાશવાણી સમાચાર સાથે વિશેષ વાતચીત કરતાં દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી રણબીરસિંહે જણાવ્યું કે નવા મતદારો અગિયાર જાન્યુઆરી સુધી પોતાનું નામાકંન કરાવી શકે છે જેમાં દસ લોકો માર્યા ગયા અને કારાવતીમાં પ્રથમ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલનો શિલાન્યાસ કરશે મંત્રીશ્રી જાવડેકરે જણાવ્યું કે યોગ એ ભારતની ઓળખ છે આ બેઠકમાં રિવોલ્યુશનરી ગાર્ડસના કુડસ ફોર્સના કમાન્ડર કાસિમ સુલેમાનીની હત્યા બાદ ઉત્પન્ન થયેલી સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી પાકિસ્તાનમાં નાનકતાન સાહિબ ખાતે ગુરૂદ્વારા શ્રી જન્મસ્થાન પરના એક હુમલાખોરને પકડી લેવામાં આવ્યો છે આ પુરસ્કાર માટે ભારત અને વિદેશમાં યોગના સકારાત્મક પ્રચારપ્રસારમાં મીડીયાની ભૂમિકાને જવાબદારીનો સમાવેશ થાય છે।